ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી છે. જેમાં એક એકસઠ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા નથુભાઈ મકોડભાઈ ભીમાણી સુરતમાં ડાયમંડ વર્કર તરીકે કામ કરતા હતા. આશરે ત્રણેક દિવસ અગાઉ સામાન્ય તાવથી ફરિયાદ કરી હતી, જેથી સૌ પ્રથમ તેઓએ ફેમેલી ડોક્ટરની સલાહ લીધી હતી, ત્યાં તેઓએ લેબોરેટરી ના રીપોર્ટ કરાવ્યા હતા, તે રીપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ ડોક્ટરને તેઓની હિસ્ટ્રી જોઈ એ રીપોર્ટ મેચ નથી થતા, બીજી કોઈ તકલીફ હશે તેવું લાગતું હતું. ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ અને સારવાર લેવાનું જણાવ્યું હતું, ત્યાંથી તેઓ ડોક્ટર મહેશ સુતરીયા ને બતાવ્યું હતું, ડોકટરે તેઓને દાખલ કરીને સારવાર શરુ કરી હતી, તે દરમ્યાન તેઓને ચક્કર આવ્યા ચક્કર આવવાની ફરિયાદ થઈ હતી, જેથી ડોકટરે દર્દીને વિશેષ સારવાર માટે સુરત યુનિટી હોસ્પીટલ દાખલ થવા સૂચન કર્યું હતું યુનિટી હોસ્પીટલમાં નથુભાઈ મંડોક ભાઈ ભીમાણને ડોક્ટર મહેશ સુતારીયા, ડોક્ટર જીગ્નેશ ધામેલીયા, ડોક્ટર જયદીપ હિરપરા દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. નથુભાઈ મકોડભાઈ ભીમાણીના પરિવારજનોને સમાચાર મળતા જ તેમની બંને ની દીકરા મયુર ભીમાણી, હિતેશભાઈ ભીમાણી અને પત્ની રાધાબેન નથુભાઈ ભીમાણી દ્વારા અંગદાન અંગે સંકલ્પ કરાયો. પરિવાર દ્વારા પરિચિત અશોકભાઈ મનજીભાઈ કાકડિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી. એમ. ગોંડલિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો આવા આગળ વધવા પ્રક્રિયા માટે. પરિવારજનોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્સ્ટિટ્યૂટ ટ્રાન્સપ્લાન્ટ નો સંપર્ક કરી કીડની અને લીવર દાન માટે જણાવ્યું હતું. પરંતુ લીવરના રીપોર્ટ યોગ્ય નહીં જણાતા કિડની અને ચક્ષુદાન નો નિર્ણય લેવાયો હતો. ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, ડોક્ટર કલ્યાણ વિજય, ડોક્ટર અખિલ કાંદપરા, ડોક્ટર મોહક સિંહ, ડોક્ટર નિધિ સરસ્વતી, મિત બ્રધર, ધવલ બ્રધર, અજયભાઈ, જીજ્ઞેશભાઈ અને ટિમ દ્વારા બે કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, અને બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. આશરે એકસો પંચાણું મીનીટમાં કીડની અમદાવાદ પહોંચવા માટે સુરતની યુનિટી હોસ્પિટલ થી હોસ્પિટલ, ન્યુ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સુધીના બસો એકસઠ માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકાર મળ્યો હતો.